આ નોટના કારણે ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. કોર્ટે સલ્લા વિરુદ્ધ રૂપિયા પચાસ હજાર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં કામ કરતા બે ક્રૂ મેમ્બર્સ અને બોર્ડ પરના એકસો પંદર મુસાફરોને દરેકને પચ્ચીસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. અદાલતે ફ્લાઇટના ક્રૂ સભ્યોને ટ્રાયલ કોર્ટના નિર્દેશ મુજબ ચૂકવણી કરવાની સ્થિતિમાં વળતર પરત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો અને વૈકલ્પિક રીતે, બેન્ચે રાજ્યોને નિર્દેશ આપ્યો કે, તે "ક્રુ સભ્યોને ચૂકવણી કરવામાં આવેલી રકમની ચૂકવણી કરે, અને તે ખુલ્લું રહે." એટલે કે, રાજ્યને ક્રૂ મે મેમ્બરસ પાસેથી રકમ વસૂલવા માટે કહેવામાં આવ્યું હતું. ખંડપીઠે એ પણ નિર્દેશ આપ્યો હતો કે, તપાસ અધિકારી દ્વારા અધિનિયમ હેઠળ જપ્ત કરાયેલી મિલકતોને "તાત્કાલિક મુક્ત કરવામાં આવે". ખાનગી કર્મચારીઓ માટે લીવ એન્શમેન્ટની કર મુક્તિ મર્યાદા વધીને પચ્ચીસ લાખ થઇ, ક્યારે તેનો ફાયદો મળશે? ખાનગી કર્મચારીઓ માટે અત્યાર સુધી લીવ એનકેશ એન્કેશમેન્ટની ટેક્સ લિમિટ ત્રણ લાખ રૂપિયા હતી અને તે પણ વર્ષ બે હજાર બેમાં નક્કી કરાઇ હતી. ખાનગી કર્મચારીઓની લીવ એન્કેસાઈમેન્ટ પર વધેલી કર મુક્તિની મર્યાદા એક એપ્રિલ, બે હજાર ત્રેવીસથી લાગુ ગણાશે. ખાનગી નોકરી કરનાર કર્મચારીઓ માટે એક ખુશ ખબર આવ્યા છે. સરકારે ખાનગી કર્મચારીઓ માટેની લીવ એન્શામેન્ટ ટેક્સની લિમિટ ધરખમ વધારીને પચ્ચીસ લાખ રૂપિયા કરી દીધી છે. સરળ શબ્દોમાં કહીયે તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મળતી રજા રોકાણ રોકડ રકમ પર પચ્ચીસ લાખ રૂપિયા સુધીની કર મુક્તિનો ફાયદો મળશે. નાણા મંત્રાલયે ચોવીસ મે બેહજાર ત્રેવીસના રોજ લીવ એન્કેશાઈમેન્ટ માટે એક ગેઝેટ ગ્રેજંટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે અને નવા નિયમો એક એપ્રિલ, બેહજાર ત્રેવીસથી લાગુ ગણાશે. લીએન્કેશાઈમેન્ટની કર મુક્તિ લિમિટમાં સાત ગણો વધારો. નાણાં મંત્રાલયે ખાનગી ક્ષેત્રોના કર્મચારીઓને મોટી રાહત આપતા લીવ એન્કેશાઈમેન્ટ કર મુક્તિ મર્યાદામાં સાત ગણો વધારો કર્યો છે. અત્યાર સુધી ખાનગી કર્મચારીઓની લીવ એન્કેશામેન્ટની ટેક્સ લિમિટ માત્ર ત્રણ લાખ રૂપિયા હતી, જે હવે વધારીને પચ્ચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ અંગે બજેટમાં ઘોષણા કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં નાણા મંત્રાલયે ગુરુવારે ખાનગી ક્ષેત્રના પગારદાર કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી રજા રોકાણ માટે કર મુક્તિ મર્યાદા વધારીને પચ્ચીસ લાખ રૂપિયા કરી છે.